પ્રસ્તાવના: ભગવાન કૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર હતા. એક સમય એવો હતો કે જ્યારે રાજાઓએ કરેલા પોપ પાપોનો બોજ ધરતી માતા માટે અસહ્ય બની ગયો હતો. તેણીએ મદદ માટે બ્રહ્માંડના સર્જક ભગવાન બ્રહ્માનો સંપર્ક કર્યો. બ્રહ્માએ બદલામાં ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, સર્વોચ્ચ એક, અને તેમના હસ્તક્ષેપની વિનંતી કરી. ભગવાન વિષ્ણુએ બ્રહ્માની પ્રાર્થના સ્વીકારી અને ખાતરી આપી કે તેમના આગલા જન્મમાં નશ્વર તરીકે તેઓ માનવ સ્વરૂપ ધારણ કરશે અને પૃથ્વીને તેના જુલમીઓથી મુક્ત કરશે. આધુનિક ભારતમાં લગભગ વર્ષ પહેલાં, મથુરાનું સામ્રાજ્ય હતું. મથુરામાં પરોપકારી રાજા ઉગ્રસેન દ્વારા શાસન હતું. ઉગ્રસેનને બે બાળકો હતા, કંસા અને દેવકી. કંસા અન્યાયી અને અત્યાચારી શાસક હતો. તેણે તેના પિતા ઉગ્રસેન પાસેથી સિંહાસન છીનવી લીધું, તેને પકડી લીધો અને અંધારકોટડીમાં મૂક્યો. તેમના શાસનમાં કોઈ સુખ ન હતું. તે અવારનવાર યદુ કુળ દ્વારા શાસિત પડોશી રાજ્ય પર યુદ્ધો કરતો હતો. તેમની પ્રજા શાંતિપૂર્ણ અને સાદું જીવન જીવવા માંગતી હતી, જેમ કે તેઓ રાજા ઉગ્રસેન હેઠળ રહેતા હતા. તેના મંત્રીઓના કહેવા પર, કંસ તેની બહેન દેવકીના લગ્ન યાદવ કુળના રાજકુમાર – વાસુદેવ સાથે કરવા સંમત થયા. તેણે એમ પણ વિચાર્યું કે એકવાર યાદવ રાજકુમાર તેની બહેન સાથે લગ્ન કરી લેશે, તે યાદવ સામ્રાજ્યનો પણ વાસ્તવિક શાસક બનશે. લગ્નનો દિવસ આવી પહોંચ્યો. આખા મથુરા શહેરને ભવ્ય લગ્ન માટે શણગારવામાં આવ્યું હતું. લગ્ન સમારોહ એક ભવ્ય પ્રસંગ હતો. લગ્ન પછી, કમસાએ નવદંપતીઓને શાહી રથમાં તેમના મહેલમાં લઈ ગયા. પરંતુ કંસા મહેલમાં પહોંચે તે પહેલાં એક દૈવી અવાજ સંભળાયો, કસમા, યાદવ રાજકુમાર સાથે તારી બહેનના લગ્ન સાથે, પૃથ્વી પર તારા દિવસોની ગણતરી થઈ ગઈ છે. દેવકી અને વાસુદેવનો આઠમો પુત્ર મથુરામાં તમારા જુલમી શાસનનો અંત લાવશે અને તમને મારી નાખશે. આ ભવિષ્યવાણીથી કંસા ખૂબ જ હચમચી ગયા. ક્રોધાવેશમાં, તેણે તેની તલવાર કાઢી, અને દેવકીને મારી નાખવાના ઇરાદા સાથે આગળ વધ્યો. તેણે વિચાર્યું કે દેવકીના મૃત્યુથી તેને ક્યારેય પુત્રનો જન્મ નહીં થાય. આ સાંભળીને વાસુદેવ ઘૂંટણિયે પડી ગયા અને દયાની ભીખ માંગી. તેમણે વચન આપ્યું હતું કે તેઓ તેમના અને દેવકીને જન્મેલા દરેક બાળકને વ્યક્તિગત રીતે કંસને સોંપશે. કંસા બાળકને મારી શકે છે અને આ રીતે ખાતરી કરે છે કે ભવિષ્યવાણી ક્યારેય સાચી ન થાય. કંસનો ગુસ્સો ઓસરવા લાગ્યો. પરંતુ વાસુદેવે તેમની વાત પાળી તે સુનિશ્ચિત કરવા માટે, તેણે વાસુદેવ અને દેવકી બંનેને અંધારકોટડીમાં કેદ કર્યા અને તેના માણસોને તેમના પર કડક નજર રાખવાનો આદેશ આપ્યો. જ્યારે પણ દેવકી બાળકને જન્મ આપે ત્યારે કંસના માણસો તેને જાણ